મોબાઈલ પાણી માં પડે કે પાણી મોબાઈલ, પર બરબાદ મોબાઈલ જ થાય છે. પત્ની એને કહેવાય જે લગ્ન પછી દસ-પંદર વર્ષ સુધી ટોકી ટોકીને તમારી બધી જ આદતોને બદલતી રહે અને પછી પાછી એની એ જ આવું કહે: 'તમે હવે પહેલા જેવા નથી રહ્યા' એક દીવાલ જાહેર દીવાલ પર લખ્યું હતું: વાંચવાવાળો ગધેડો, ગુસ્સે થયેલા મગને લખાણ ભૂંસી નાખ્યું અને લખ્યું 'લખવાવાળો ગધેડો. મુર્ખાઈની પરાકાષ્ઠા: કાચના બારણાના કી-હોલમાંથી જોવું તે ફેશનની પરાકાષ્ઠા: કોઈને કોર વિઝિનનું વિઝીટીંગ કાર્ડ આપવું તે, કંજુસીની પરાકાષ્ઠા કઈ? મારવાડીને સેકન્ડ હેન્ડને નેનો ખરીદવાની રાહ જુવે. એમાંય જો ગેસ કીટ ફીટ કરેલ હોય તો પેહલી પસંદગી. રજનીકાંત ગિટાર વગાડતો હતો. અવકાશમાંથી એક એલિયને આવીને વિનંતી કરી: મારો દીકરો વાંચે છે, જરા ધીમેથી વગાડશો ભાઈ! હોશિયાર, બુધ્ધિશાળી, સુંદર, પ્રેમાળ, સમજુ, સ્વાદિષ્ટ ભોજન બનાવનારી ધર્મપત્ની મળી છે એવું કોઈ કહે તો ઘટનાને તમે શું કહેશો? કંઈ નહીં, અફવા હું, બીજું શું કહું? કાલે એક પરિણીત પુરુષના ઘરે એવું કોઈ સગ સગું લગ્નની કંકોત્રી આપવા આવ્યું. છગને એક સામાયિકમાં જાહેરાત આપી: 'પ્રિય વાચકો, હું ગાંધીજીના ફોટા ભેગા કરું છું. તમે મદદ કરી શકો છો. તમારા ઘરમાં જેટલી પણ પાન્સો રૂપિયાની નોટ હોય એ મને મોકલાઈ દેવા વિનંતી. આવનારી ફિલ્મોના નામ:- જબ વી ચેટ, નમસ્તે ફેસબુક, હમ આપકે હે મ્યુચ્યુઅલ ફ્રેન્ડ, સાત ગાલી માફ, હમ કર કઈ ચુકે સનમ, કભી રિલેશનશિપ કભી સિંગલ, મેને પોક ક્યું કિયા, મુજસે ચેટ ચેટિંગ કરોગે. તે દિવસો દુર નથી જયારે દીવાલો ઉપર લખવામાં આવ્યું હશે કે પંદર દિવસમાં, છોડાવો ગેરંટી સાથે. મળો દર બુધવારે જુના બસ સ્ટેન્ડ પાસે એક બસની પાછળ આવું લખ્યું હતું: અગર ખુદાને ચાહા તો મંઝિલ તક પહૂંચા દુંગા ઔર અગર આંખ લગ ગઈ તો મા કસમ, ખુદા સે હી મિલા દુંગા. કોઈ નો અકસ્માત થાય ત્યારે, કોઈ ને અકસ્માત થાય ત્યારે બધા ના અલગ અલગ નિવેદનો, અમેરીકન: ઓહ માય ગોડ! પાકિસ્તાન: યા અલ્લાહ! સાઉથ આફ્રીકન: ઓ, લા લા! ગુજરાતી: બઉં હવા મારતો હતો ને, તઇ ઘુસાડી દીધો. એક માણસ- ભૈયા વાળ નાના કરી નાખો. નાઈ- કેટલા નાના કરવા છે ભાઈ!! માણસ- આટલા નાના કરી નાખો કે પત્નીના હાથમાં ન આવી શકે!! ધારો કે તમે પત્ની સાથેની દલીલબાજીમાં જીતી ગયા. હવે શું કર એની માફી માગી લો ભાઈ, જો શાંતિથી જીવવું હોય તો. પત્ની જોઈએ છે' એવી જાહેરાતના જવાબમાં એક જે હજાર સ્ત્રીઓને લખ્યું: તમારો લઈ જાઓ. સંતા એ ઘોડા વિશે બસો પાનાની ચોપડી લખી. શીર્ષક હતું: ઘોડા કઈ રીતે દોડે છે? પ્રથમ પાના પર લખ્યું હતું: ઘોડા કઈ રીતે દોડે છે? બાકીના એકસો નવ્વાણું પાના પર લખ્યું હતું: તબડક